ગુર્જર સમ્રાટ મિહિર ભોજ દ્વારા જારી કરાયેલા સિક્કા આરબ પ્રવાસી સુલેમાન અને મસૂદીએ તેમના પ્રવાસ વર્ણનમાં લખ્યું છે કે 'ગુર્જર સમ્રાટ જેનું નામ બારહ છે. તેના રાજ્યમાં ચોરો અને લૂંટારાઓનો ભય નથી. તેની રાજધાની કન્નૌજ ભારતનું મુખ્ય શહેર છે, જેમાં કિલ્લાઓ અને દસ હજાર મંદિરો છે. મિહિર ભોજે તેમના જીવનના પચાસ વર્ષ યુદ્ધના મેદાનમાં ઘોડા પર બેસીને લડાઈમાં વિતાવ્યા. તેની પાસે ચાર સેનાઓ હતી, જેમાંથી એક કનકપાલ પરમારના નેતૃત્વમાં ગઢવાલ નેપાળના રાઘવદેવને તિબેટના આક્રમણથી રક્ષણ આપતી હતી. એ જ રીતે, અલ્કન દેવની આગેવાની હેઠળ એક સૈન્ય પંજાબમાં હાલના ગુજરાજ શહેર નજીક તૈનાત હતું, જેણે કાબુલના લાલિયાશાહી રાજાઓને તુર્કીસ્તાન બાજુના હુમલાઓથી રક્ષણ આપ્યું હતું. તેની પશ્ચિમી સેના મુલતાનના મુસ્લિમ શાસકને નિયંત્રિત કરતી હતી. દક્ષિણનું સૈન્ય માનકીના રાજા બલહાર સાથે લડી રહ્યું હતું અને બીજી બે સેનાઓ બે દિશામાં લડી રહી હતી. સમ્રાટ મિહિર ભીજ પોતે આ ચાર સેનાઓનું સંચાલન, માર્ગદર્શન અને નિયંત્રણ કરતા હતા. એક શક્તિશાળી શાસક હોવા ઉપરાંત, મિહિર ભોજ એક વિદ્વાન અને શિક્ષણ અને કળાના ઉદાર આશ્રયદાતા હતા. તેમની વિદ્વતાના કારણે તેમણે 'કવિરાજ'નું બિરુદ ધારણ કર્યું. તેમના પૂર્વજ ગુર્જર પ્રતિહાર સમ્રાટ નાગભટ્ટ ની જેમ, સમ્રાટ મિહિર ભોજે તેમના પૂર્વજોની જેમ સ્થાયી સૈન્ય ઉભું કર્યું જે આરબ આક્રમણકારો સામે લડવા માટે જરૂરી હતું. જો નાગભટ્ટ પ્રથમ પછીના બીજા સમ્રાટોએ પણ સ્થિર, પ્રશિક્ષિત અને કાર્યક્ષમ અને દેશભક્તિ સેનાની જાળવણી ન કરી હોત તો ભારતનો ઈતિહાસ કંઈક જુદો હોત અને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા જેવી કોઈ વસ્તુ ન હોત. મિહિરભોજનું ચુંબકીય વ્યક્તિત્વ હતું, તેની પાસે વિશાળ હાથ અને વિશાળ આંખો હતી. તેની લોકો પર વિચિત્ર અસર થઈ. તેઓ દરેક ક્ષેત્રમાં નિપુણ હતા, એવું કહેવાય છે કે તેઓ એક પરાક્રમી પરાક્રમી, મહાન ધાર્મિક, રાજનીતિમાં નિપુણ અને મહાન સમ્રાટ હતા. આપણે કહી શકીએ કે તેઓ ભારતના વફાદાર શાસક હતા. તેમનું રાજ્ય વિશ્વમાં સૌથી શક્તિશાળી હતું. તેના રાજ્યમાં ચોર અને ડાકુઓનો ભય નહોતો. આર્થિક સમૃદ્ધિથી સૌ ખુશ હતા. તમને જાણીને આનંદ થશે કે તેમના શાસનકાળ દરમિયાન ભારતને સોનાનું પક્ષી કહેવામાં આવતું હતું.